તમને જણાવી દઈએ કે મહેશ બાબુના મોટા ભાઈ રમેશ બાબુનું આ વર્ષે નિધન થયું હતું. તે જ સમયે, બે મહિના પહેલા એટલે કે સપ્ટેમ્બરમાં, તેમની માતા ઇન્દિરા દેવીએ દુનિયાને અલવિદા કહ્યું. હવે તેના પિતા કૃષ્ણ નથી રહ્યા. હાલમાં, કૃષ્ણ ઘાટ્ટાંમાણેનીના અંતિમ સંસ્કાર ક્યારે અને ક્યાં કરવામાં આવશે તે જાહેર કરવામાં આવ્યું નથી. તમને જણાવી દઈએ કે કૃષ્ણા ઘાટ્ટાંમાણેની એક્ટર હોવાની સાથે પ્રોડ્યુસર, ડિરેક્ટર અને પોલિટિશિયન પણ હતા. તેણે તેની અભિનય કારકિર્દીમાં લગભગ ત્રણસો પચાસ ફિલ્મોમાં અભિનય કર્યો અને લગભગ પાંચ દાયકા સુધી દક્ષિણ ફિલ્મ ઉદ્યોગ પર રાજ કર્યું. તેણે ઓગણીસો એકસઠ માં પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. શરૂઆતના તબક્કામાં તેણે ફિલ્મોમાં નાના રોલ કર્યા. મુખ્ય અભિનેતા તરીકે તેમની પ્રથમ ફિલ્મ ઓગણીસો પાસઠમાં ટેને મનસુલુ હતી. આ ફિલ્મે તેને સાઉથ ઈન્ડસ્ટ્રીનો સ્ટાર બનાવી દીધા. તમને જણાવી દઈએ કે કૃષ્ણાએ જીવનમાં બે લગ્ન કર્યા હતા, જો કે હવે તેમની બંને પત્નીઓ આ દુનિયામાં નથી. તેમને બે પુત્રો અને ત્રણ પુત્રી એમ પાંચ બાળકો છે. બાંગ્લાદેશ સામે ભારત જીતશે તો મારું નામ બદલીને નરેન્દ્ર મોદી રાખીશ , પાકિસ્તાની અભિનેત્રી સેહર શિનવારીનું ટ્વિટ વાઈરલ . ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વીસ વર્લ્ડ કપ બે હજાર બાવીસ ની ખૂબ જ રોમાંચક મેચ જોવા મળી હતી. બે નવેમ્બર, બુધવારના રોજ રમાયેલી આ મેચમાં ભારતે જીત મેળવી હતી, પરંતુ બાંગ્લાદેશ સામે ટક્કર મળી હતી. તેના ખેલાડીઓએ મેચના અંત સુધી હાર ન માની અને ક્રિકેટ પ્રેમીઓને યાદગાર મેચ જોવા મળી. પાકિસ્તાની દર્શકોએ પણ આ મેચમાં ઘણો રસ લીધો હતો. મધ્યમાં એક તબક્કે એવી સ્થિતિ સર્જાઈ હતી, જ્યાંથી એવું લાગતું હતું કે ભારત મેચ હારી શકે છે. પરંતુ ત્યારબાદ વરસાદ પડ્યો અને બાંગ્લાદેશને સોડ ઓવરમાં એકસો એકાવન રન બનાવવાનો ટાર્ગેટ મળ્યો. પ્રથમ બેટિંગ કરતા ભારતે વીસ ઓવરમાં એકસો ચોર્યાસી રન બનાવ્યા હતા. જો કે, એક સમયે જ્યારે મેચ ભારતના હાથમાંથી જતી જોવા મળી રહી હતી, તે સમયે ઘણા પાકિસ્તાની ચાહકો ઉજવણી કરી રહ્યા હતા. કોઈએ લખ્યું કે આ 'કુદરતનો નિઝામ' છે તો કોઈએ લખ્યું કે જો ભારત મેચ જીતશે તો તેઓ પોતાનું નામ બદલી દેશે.